અને કદાચ તેમાંના લગભગ નાઈન્ટી ફાઈવ ટકા મને ખબર નથી કે શું થયું. હવે, તે કરવા માટે જે સમય અને પ્રયત્નો કર્યા તેના વિશે હું કેવી રીતે અનુભવું જ્યારે મને કોઈ ખ્યાલ નથી કે જો મેં તમને મદદ કરી હોય. શું તે ખરેખર તમને જોઈતી વસ્તુ મેળવવા માટે મદદ કરશે? હકીકતમાં, અસરકારક લાગણીનો આ વિચાર શા માટે અમુક પ્રકારના દાતાઓની અપીલ એટલી સમજાવટભરી હોય છે કારણ કે તેઓ તમને ખરેખર આબેહૂબ કલ્પના કરવાની મંજૂરી આપે છે તમારી સહાય પર અસર થશે. દાતાઓ પસંદ કરે તેવું કંઈક લો. તમે ઓનલાઇન જઈને નામ દ્વારા વ્યક્તિગત શિક્ષક પસંદ કરી શકો છો જેના વર્ગખંડમાં તમે મદદ કરી શકશો તેઓએ વિનંતી કરેલી વિશિષ્ટ વસ્તુઓની શાબ્દિક ખરીદી કરીને જેમકે માઇક્રોસ્કોપ અથવા લેપટોપ અથવા લવચીક બેઠક. તેના જેવી અપીલ મારા માટે કલ્પના કરવી ખૂબ જ સરળ બનાવે છે મારા પૈસા જે સારું કરશે તે મને ખરેખર અસરકારકતાની તાત્કાલિક સમજ મળે છે હું મિનિટ આપવા માટે પ્રતિબદ્ધ. તમે જાણો છો, તેઓ બીજું શું કરે? તેઓ અનુસરે છે. દાતાઓને ખરેખર વર્ગખંડમાં બાળકો પાસેથી પત્રો મળે છે, તેમને ચિત્રો મળે છે. તેમને ખબર પડે છે કે તેઓએ ફરક પાડ્યો છે. અને આ તે છે જે આપણે બધાએ આપણા રોજિંદા જીવનમાં કરવાની જરૂર છે ખાસ કરીને જો આપણે ઇચ્છીએ કે લોકો આપણેને સહાય આપવાનું ચાલુ રાખે લાંબા ગાળે. તમારા સાથીને કહેવા માટે સમય કાઢો કે તેમને જે ટેકો આપ્યો છે ખરેખર તમારા માટે મુશ્કેલ સમયમાંથી પસાર થવું શક્ય બનાવ્યું છે. તમારા કેટ-સિટરને કહેવા માટે સમય કાઢો કે તમે ખૂબ ખુશ છો કે કોઈ કારણોસર આ સમયે જ્યારે તમે બહાર હતા ત્યારે બિલાડીઓ એ કંઈ તોડયુ નહોતુ અને તેથી તેઓ એક ખરેખર સારું કામ કર્યું છે. હું જાણું છું, મારા પર વિશ્વાસ કરો, હું જાણું છું કે મદદ માટે પૂછવું સહેલું નથી. આપણે બધા તેને કરવાથી થોડો ભયભીત છીએ. તે આપણને નબળાઈ અનુભવે છે. પરંતુ આધુનિક કાર્યની વાસ્તવિકતા અને આધુનિક જીવન કોઈ એકલા નથી કરતા. કોઈ પણ શૂન્યાવકાશમાં સફળ થતું નથી. પહેલા કરતા વધારે આપણે ખરેખર અન્ય લોકો પર આધાર રાખવો પડશે સફળ થવા માટે તેમના આધાર અને સહયોગ પર. તેથી જ્યારે તમને સહાયની જરૂર હોય, ત્યારે મોટેથી પૂછો. અને જ્યારે તમે કરો છો, ત્યારે એવી રીતે કરો કે તમારી તકોમાં વધારો થાય કે તમને હા મળશે અને બીજી વ્યક્તિને તમારી સહાય કરવામાં આનંદ મળે કારણ કે તમે બંને તેના લાયક છો.